પીળી દિવાલો સાથે એન્ટીક ડાઇનિંગ હોલ. મસ્ટર્ડ શેડ્સ તમે તમારા રસોડા અથવા ડાઇનિંગ રૂમને ગરમ સરસવના રંગમાં રંગાવી શકો છો. જો અસાધારણ દિવાલના ટુકડાઓ અને તેજસ્વી લાઇટ્સથી યોગ્ય રીતે સજાવવામાં આવે તો હોમ પેઇન્ટ કલર તમારી દિવાલોમાં સૌંદર્યલક્ષી સ્પર્શ ઉમેરી શકે છે. સરસવ રંગની સુંદર દિવાલો સાથે લાકડાનું ફર્નિચર ઓરેન્જ અને ડાર્ક બ્રાઉન હોમ ઈન્ટીરીયર કલર કોમ્બિનેશન નારંગી ગરમ અસર સાથેનો બીજો રંગ છે. તમારા આંતરિકને રંગવા માટે એક ઉત્તમ રંગ છે. ફરીથી, નારંગીના ઘાટા અને હળવા શેડ્સ છે. ઘાટા શેડ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો કારણ કે તે નારંગીના હળવા શેડ્સ જેટલા મોટા નથી. તેજસ્વી શેડ્સ લાંબા સમય સુધી જોવા માટે મુશ્કેલ છે. પેસ્ટલ બ્લુ અને ક્રીમના નવા હોમ કલર ટ્રેન્ડમાં પેસ્ટલ બ્લુ શેડ્સનો સમાવેશ થાય છે. રંગોનો ઉપયોગ તમારા શયનખંડ અથવા બાથરૂમને રંગવા માટે કરી શકાય છે. તેમાં ઠંડી અને શાંત અસર છે. તમે તેને થોડું ગરમ કરવા માટે લાકડાના ફર્નિચર ઉમેરી શકો છો. ઈંટની છબી સાથે પેસ્ટલ વાદળી દિવાલો, ગ્રે અને વ્હાઇટ હોમ ઇન્ટિરિયર, ગ્રેના શેડ્સ પણ ખૂબ શાંત અને સુખદાયક રંગો છે. તમારા ઘરનો પ્રવેશ માર્ગ તમારા મહેમાનો માટે આવકાર્ય બિંદુ છે. તેથી, તટસ્થ રંગ હેતુ સાથે સારી રીતે પૂરક બનશે. તમે સ્થાનને કેટલાક વિરોધાભાસી ફર્નિચરના ટુકડાઓ અથવા તમારી પસંદગીના કેટલાક લીલા છોડ સાથે સજાવટ કરી શકો છો. સોફા અને સાદડી સાથે ગ્રે, લિવિંગ રૂમ મેજેન્ટા અને ડાર્ક પર્પલ ડિઝાઇન અને સજાવટમાં કેટલાક વાઇબ્રન્ટ પંચ ઉમેરો. રંગ આપણી આસપાસના વાતાવરણમાં નાટકીય અસર ઉમેરશે. જો તમે દિવાલ પેઇન્ટને કેટલાક પૂરક ફર્નિચર અને ડેકોરેટિવ પીસ સાથે જોડી શકો છો, તો તે થોડો સમય પસાર કરવા માટે એક આકર્ષક વિસ્તાર બની જશે. ક્લાસિક ઓલ-મેજેન્ટા શણગાર, ક્રિમસન અને રંગેલું ઊની કાપડ, લાલ રંગના હોમ પેઈન્ટ કલરની બીજી વાઈબ્રન્ટ અને આકર્ષક દેખાતી શેડ છે. કલ્પના કરો કે તમારા ઘરના નાના ખૂણે બારી પાસે બેસીને તમારી મનપસંદ નવલકથાઓ વાંચવી કેટલી અદ્ભુત હશે અને તેની આસપાસની દીવાલો દોરવામાં આવી હશે. પૃષ્ઠભૂમિમાં કિરમજી દિવાલ સાથે ચાઇનીઝ ફર્નિચર એવોકાડો ગ્રીન અને બ્રાઉન હોમ ઈન્ટીરીયર કલર કોમ્બિનેશન તમારું ઘર આખી દુનિયામાં સૌથી સુરક્ષિત જગ્યા છે. એવોકાડો લીલા રંગ જેવા ઘેરા વેલ્વેટી ઘરના રંગો હૂંફાળું અને ગરમ સાર લાવે છે જે દરેક ઘર ખરીદનાર તેમના ઘરોમાં શોધે છે. રંગ મેઘધનુષ્યના લગભગ તમામ રંગોમાં સમૃદ્ધ છે. તેથી, તમે દિવાલ પેઇન્ટ સાથે જશે કે કેમ તેની ચિંતા કર્યા વિના કોઈપણ વસ્તુથી આસપાસની જગ્યાને સજાવટ કરી શકો છો.